રાશિચક્ર શુક્ર દ્વારા શાસન કરે છે અને "ગુલાબી" રંગ દ્વારા રજૂ થાય છે. તુલા રાશિઓને દરેક વસ્તુ સુંદર ગમે છે અને તે જગ્યાઓ માટે જન્મજાત ગુરુત્વાકર્ષણ ધરાવે છે જે સૂક્ષ્મ અને સહજ લાવણ્યને પ્રતિબિંબિત કરે છે. તેઓએ તેમના ઘરના આંતરિક ભાગમાં પેસ્ટલ્સ સાથે કામ કરવું જોઈએ, શાંતિપૂર્ણ વાતાવરણ બનાવવું જોઈએ. તેથી, સ્વચ્છ રેખાઓ, વાઇબ્રન્ટ રંગો અને કુદરતી અને કૃત્રિમ તત્વોના મિશ્રણ સાથે મધ્ય સદીની આધુનિક શૈલી તુલા રાશિના ઘરો માટે ઉત્તમ છે. તેઓ મુસાફરી કરવાનું અને સમગ્ર વિશ્વમાંથી પ્રેરણા લેવાનું પસંદ કરે છે. જેમ કે તેઓ બહાર સમય પસાર કરવાનું વધુ પસંદ કરે છે, તેમના ઘરની આંતરિક સુંદરતાનું પ્રતિનિધિત્વ હોવું જોઈએ. આમ, બોહેમિયન શૈલી તેમના માટે યોગ્ય માનવામાં આવે છે. તે એટલા માટે હોઈ શકે છે કારણ કે તેની રાશિનું પ્રતીક પાણી વાહક છે. તે યુરેનસ દ્વારા શાસન કરે છે અને "વાદળી" રંગ દ્વારા રજૂ થાય છે. કુંભ રાશિના લોકો મૂળ અને આગળની વિચારસરણી માટે જાણીતા છે.